ભાજપના ઉમેદવાર શુભ્રત મૈત્રાએ તેમને મતોના અંતરથી હરાવ્યા. પીએમ મોદીએ કહ્યું- ગયા વર્ષે ચૌદ નવેમ્બરે જ્યારે બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ત્યારે મેં મુખ્યાલયમાં આ જ જગ્યાએથી કહ્યું હતું કે ગંગા બિહારથી લઈને ગંગાસાગર સુધી વહે છે. આજે, બંગાળમાં જીત સાથે ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી દરેક જગ્યાએ કમળ ખીલી રહ્યું છે. કૉપી લિંક હાવડાના ડુમુરજલા વિસ્તારમાં કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી. ખુરશીઓ-બારીઓ તોડી નાખવામાં આવી. પાર્ટીનો ઝંડો રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો. સાંજે સાત વાગ્યાના વલણો મુજબ, બે બેઠકો પર હજાર થી ઓછા મતોનો તફાવત છે. જ્યારે સાત બેઠકો પર હજાર થી મતોનો તફાવત છે. કૉપી લિંક કૉપી લિંક ભવાનીપુરમાં ઉમેદવાર સુવેન્દુ અધિકારીના મુખ્ય ચૂંટણી એજન્ટ સૂર્યનિલ દાસે કહ્યું કે, મમતા બેનર્જી પોતાના મોબાઈલ ફોન સાથે અને કાર્ડ વગર પરિસરમાં દાખલ થયા. ચૂંટણી પંચે ફરજિયાત કર્યું છે કે કાર્ડ પર એક કોડ હોવો જોઈએ, જેને મતગણતરી હોલમાં પ્રવેશની મંજૂરી આપતા પહેલા સ્કેન કરવું જરૂરી છે. જો તેમની પાસે કાર્ડ નહોતું, તો તેમને અંદર જવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? તેમને ફોન લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી? જ્યાં સુધી એ નક્કી ન થાય કે આ કોણે કર્યું, ત્યાં સુધી મતગણતરી નહીં થાય. બંગાળ પોલીસ પોતાની જવાબદારી ભૂલી ગઈ છે. મમતા બેનર્જી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કૉપી લિંક પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ગયું! બે હજાર ચવીસ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રહેશે. જનતાની શક્તિનો વિજય થયો છે અને સુશાસનની રાજનીતિ સફળ રહી છે. હું પશ્ચિમ બંગાળના દરેક વ્યક્તિ સમક્ષ નતમસ્તક છું. કૉપી લિંક પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવનાર આમ જનતા ઉન્નયન પાર્ટીના નેતા હુમાયુ કબીર બંને બેઠકો પરથી જીતી ગયા છે. કબીર રેજીનગર અને નૌદાથી ચૂંટણી લડ્યા હતા. કૉપી લિંક પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે તમામ વિભાગીય સચિવો અને ઓફિસ હેડને આદેશ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સરકારી ઓફિસમાંથી કોઈ પણ ફાઈલ કે કાગળ ગાયબ ન થવો જોઈએ. કૉપી લિંક પીએમ મોદીએ ઝારગ્રામમાં વિક્રમ સાયની દુકાન પર ઝાલમુરી ખાધી હતી. વિક્રમે આજે આખો દિવસ પોતાની દુકાન બંધ રાખી. સાંજે વલણોમાં ભાજપની જીત પછી તેઓ દુકાન પર આવ્યા. કૉપી લિંક કૉપી લિંક કૉપી લિંક કૂચ બિહારના દિનહાટા ટાઉન બ્લોક અધ્યક્ષ બિશુધરનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો. પાનીહાટી બેઠક પરથી આરજીકર રેપ પીડિતાની માતા રત્ના દેબનાથ લગભગ વીસ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. ભવાનીપુરના સખાવત સ્કૂલ મેમોરિયલ કાઉન્ટિંગ સેન્ટરમાં લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી મતગણતરી અટકી હતી. જોકે, હવે તે ફરી શરૂ થઈ.